ગીનીસ બુક ઓફ રેકોર્ડમાં જાહેર પુસ્તકાલયમાંથી મોટાભાગે ચોરાયેલ પુસ્તક હોવાનો રેકોર્ડ છે. જ્યારે તમે છીંકો છો ત્યારે લોકો "તમને આશીર્વાદ આપો" કહે છે કારણ કે જ્યારે તમે છીંકો છો, ત્યારે તમારું હૃદય એક મિલિસેકન્ડ માટે થંભી જાય છે. ડુક્કર માટે આકાશમાં જોવું શારીરિક રીતે અશક્ય છે "રિધમ" એ સ્વર વગરનો સૌથી લાંબો અંગ્રેજી શબ્દ છે. જો તમને ખૂબ સખત છીંક આવે છે, તો તમે પાંસળીને ફ્રેક્ચર કરી શકો છો. જો તમે છીંકને દબાવવાનો પ્રયાસ કરો છો, તો તમે તમારા માથા અથવા ગરદનની રક્તવાહિનીને ફાટી શકો છો અને મૃત્યુ પામી શકો છો. પત્તા રમવાના ડેકમાં દરેક રાજા ઇતિહાસના મહાન રાજાનું પ્રતિનિધિત્વ કરે છે. જો ઉદ્યાનમાં ઘોડા પર બેઠેલી વ્યક્તિની મૂર્તિના આગળના બંને પગ હો હવામાં હોય, તો તે વ્યક્તિ યુદ્ધમાં મૃત્યુ પામે છે. જો ઘોડાનો આગળનો એક પગ હવામાં હોય, તો વ્યક્તિ યુદ્ધમાં મળેલા ઘાવના પરિણામે મૃત્યુ પામે છે. જો ઘોડાના ચારેય પગ જમીન પર હોય, તો વ્યક્તિનું મૃત્યુ કુદરતી કારણોસર થયું હતું. પ્રશ્ન – આ એકમાત્ર એવો ખોરાક છે જે બગડતો નથી. આ શું છે? ઉત્તર– મધ. મગર તેની જીભ બહાર કાઢી શકતો નથી. ગોકળગાય ત્રણ વર્ષ સુધી સૂઈ શકે છે. બધા ધ્રુવીય રીંછ ડાબોડી હોય છે. નશામાં હોય ત્યારે કીડી હંમેશા તેની જમણી બાજુએ પડી જાય છે. ઇલેક્ટ્રિક ખુરશીની શોધ ડેન્ટિસ્ટ દ્વારા કરવામાં આવી હતી. માનવીય હૃદય પૂરતું દબાણ બનાવે છે, જ્યારે તે લોહીને તીસ ફીટ સુધી ખેંચવા માટે શરીરમાં બહાર પંપ કરે છે। માત્ર એક કલાક માટે હેડફોન પહેરવાથી તમારા કાનમાં બેક્ટેરિયા સાતસો ગણા વધી જાય છે. મોટાભાગની લિપસ્ટિકમાં માછલીના ભીંગડા હોય છે. ફિંગર પ્રિન્ટની જેમ દરેકની જીભની પ્રિન્ટ પણ અલગ અલગ હોય છે. નાઇનટી એઇટ પરસેન્ટ લોકો જે આ વાંચે છે, તેઓ જાણતા નથી કે શું છે.